દરેક વ્યક્તિ ભાગેડુ જીવનથી દૂર રહીને થોડી ક્ષણો માટે હળવા થવા માંગે છે. આપણે હંમેશાં લોકોને કહેતા સાંભળવામાં આવે છે કે,આ વખતે આપણે સિંગાપોર ફરવા જઈશું, અથવા થાઇલેન્ડ જઈશું. પરંતુ, આજે અમે તમને ભારતના આવા અવિશ્વસનીય પર્યટન સ્થળ વિશે જણાવીશું, તે જાણ્યા પછી કે,તમે ચોક્કસપણે થાઇલેન્ડ અથવા સિંગાપોર જવા વિશે વિચારશો નહીં. આજે અમે તમને ભારતની તે જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં દરેકનું સ્વપ્ન ફરવાનું છે. ચાલો જાણીએ ભારતમાં જોવા માટેના શ્રેષ્ઠ સ્થાનો – આ કયા સ્થળો છે. ભારતમાં જોવા માટે શ્રેષ્ઠ સ્થાનો:. અમરકંટક: અમરકંટક મધ્યપ્રદેશના શાહડોલ જિલ્લામાં છે. નર્મદા નદી, ભારતની મુખ્ય નદીઓમાંની એક, અમરકાંટકમાં જ ઉત્પન્ન થઈ. અમરકંટકને પર્યટનની દ્રષ્ટિએ ભારતના શ્રેષ્ઠ પર્યટન સ્થળ તરીકે ગણવામાં આવે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અમરકંટકની મુલાકાત લે છે. અહીં ઘણી રેન્જ છે. વિંધ્યા અને સત્પુરા શ્રેણીઓ પોતામાં ઘણા રહસ્યો ધરાવે છે. આ પર્યટક સ્થળ ભારતના સૌથી અદભૂત પર્યટન સ્થળનો દરજ્જો ધરાવે છે.. આંદામાન-નિકોબાર: બંગાળની ખાડી અને હિંદ મહાસાગરને અડીને આંદામાન ભારતનું સૌથી સુંદર પર્યટન સ્થળ માનવામાં આવે છે. એકવાર પ્રવાસીઓ અહીં આવે છે, તેઓ આ સ્થાનની પ્રશંસા કર્યા વિના જીવી શકશે નહીં.. સિજુ: મેઘાલયમાં બહુ ઓછા લોકોએ સિજુનું સાંભળ્યું હશે. જો તમને આ સ્થાન નવું લાગે, પણ પ્રવાસીઓ માટે, આ સ્થાન ખૂબ જાણીતું છે અને સૌથી વધુ પસંદ કરેલી જગ્યાઓમાંથી એક છે.